તેમણે પુરવાર કરી દીધું કે ફિલ્મનો હીરો લૂક નથી, અવાજ છે. તેઓ તેમના અવાજ અને એટીટ્યુડથી ચાલ્યા. ને એવા ચાલ્યા કે ન પૂછો વાત. કોઈ અભિનેતા તેના ડાયલોગ્સને કારણે સર્વાધિક યાદ હોય તો તે માત્ર રાજકુમાર. તેમનું સાચું નામ કુલભૂષણ પંડિત. મુંબઈમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. ઓગણીસો બાવનમાં ફિલ્મોમાં આવ્યા. સતત ચાર દાયકા સુધી છવાયેલા રહ્યા. માણીએ તેમણે ફટકારેલા ડાયોલોગ આ વાંચતી વખતે તમારા મગજમાં રાજકુમારનો અવાજ પણ ગૂંજશે. સો ટકાની ગેરેન્ટી, જબ રાજેશ્વર દોસ્તી નિભાતા હૈ તો અફસાને લિક્ખે જાતે હૈ ઔર જબ દુશ્મની કરતા હૈ તો તારીખ બન જાતી હૈ. રાજેશ્વર સિંહ, સૌદાગર જિસકે દાલાન મેં ચંદન કા તાડ હોગા વહાં તો સાંપો કા આના-જાના લગા હી રહેગા. પૃથ્વીરાજ, બેતાજ બાદશાહ ચિનૉય સેઠ, જિનકે અપને ઘર શીશે કે હોં, વો દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે. રાજા, વક્ત બેશક મુઝસે ગલતી હુઈ, મેં ભૂલ હી ગયા થા, ઇસ ઘર કે ઇન્સાનો કો હર સાંસ કે બાદ દૂસરી સાંસ કે લિયે ઇજાઝત લેની પડતી હૈ ઔર આપકી ઔલાદ ખુદા કી બનાઈ હુઈ ઝમીન પર નહીં ચલતી, આપકી હથેલી પર રેંગતી હૈ. સલીમ અહમદ ખાન, પાકીઝા જબ ખૂન ટપકતા હૈ તો જમ જાતા હૈ, અપના નિશાન છોડ જાતા હૈ ઔર ચીખ-ચીખકર પુકારતા હૈ કિ મેરા ઇંતકામ લો, મેરા ઇંતકામ લો. જેલર રાણા પ્રતાપ સિંહ, ઇંસાનિયત કા દેવતા બિલ્લી કે દાંત ગિરે નહીં ઔર ચલે આયે શેર કે મુંહ મેં હાથ ડાલને. યે બદ્તમીઝ હરકતેં અપને બાપ કે સામને ઘર કે આંગન મેં કરના, સડકો પર નહીં. પ્રોફેસર સતીશ ખુરાના, બુલંદી હમ અપને કદમો કી આહટ સે હવા કા રુખ બદલ દેતે હૈ. પૃથ્વીરાજ, બેતાજ બાદશાહ જાની હમ તુમ્હારે મારેંગે, ઔર ઝરુર મારેંગે. લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા. રાજેશ્વર સિંહ, સૌદાગર હમ વો કલેક્ટર નહીં જિનકા ફૂંક મારકર તબાલા કિયા જા સકે. કલેક્ટરી તો હમ શૌક સે કરતે હૈ, રોઝી-રોટી કે લિયે નહીં. દિલ્હી તક બાત મશહૂર હૈ કિ રાજપાલ ચૌહાન કે હાથ મેં તંબાકૂ કા પાઇપ ઔર જેબ મેં ઇસ્તીફા રખતે હૈ. જિસ રોઝ હમ કુર્સી પર બૈઠ કર ઇન્સાફ નહીં કર સકેંગે ઉસ રોઝ હમ કુર્સી છોડ દેંગે. સમય ગયે ચૌધરી! રાજપાલ ચૌહાન, સૂર્યા રાજા કે ગમ કો કિરાએ કે રોને વાલો કી ઝરુરત નહીં પડેગી ચિનૉઇ સાહબ.